મોટા છોકરાની વહુ તો મંગળપરીને પણ સંભળાય એમ બોલી હતી, "બાપુજીએ આ લપને ખોટી હેળવી છે." ખુદ ગોપાળજી શેઠે પણ મંગળપરીને કહ્યું હતું, "મંગળપરી, તમે આવ્યા છો તો હું તમને ખાલી હાથે પાછા નથી કાઢતો, પણ ટિકિટભાડાં ખર્ચીને અહીં આવવાની તકલીફ ન લેશો. હું વરસે, બે વરસે ગામડે આવું જ છુંને? તમે જાણો જ છો કે મારા દીકરાઓ શહેરમાં જ મોટા થયા છે. એમને તમારી અવરજવર ન ગમે અને કદાચ કોઈ બોલે કારવે તો તમને દુઃખ થાય." પરંતુ જવાબમાં મંગળપરી હેં-હેં-હેં કરીને બોલ્યા હતા,"હું તો શંકરનો પૂંજારી છું. મારો તો હક છે. આ તો કાંઈ નથી, પણ મારા દીકરા-દીકરી પરણશે ત્યારે હું તમાંરી સિવાય કોની સામે હાથ લાંબો કરવા જાઈશ?" એ વાતને પણ એક વરસ માંડ થયું ત્યાં તો મંગળપરીએ ફરીથી શહેરની વાટ પકડી. ગોપાળજી શેઠના ઘરમાં કેટલાક દિવસોથી ચહલ-પહલ વધી ગઈ હતી. નાના દીકરા રાજેશનાં લગ્ન લેવાયાં હતાં. રાજેશે ગોપાળજી શેઠને કહી દીધું હતું કે, "ઘરને કલર તો મારી પસંદગીનો જ લાગશે. તમારી પસંદગી બહુ વિચિત્ર હોય છે." જવાબમાં શેઠે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું,"જે જવાબદારી લો એ સમયસર પતાવજો. પછી એવું ન બને કે જાનની બસો ઉપડતી હોય ત્યારે જ કલરવાળા આવીને ઊભા રહે." રાજેશ કલરવાળાને બોલાવવા જતો હતો ત્યાં તો શેઠાણીએ એને જ હાથ જોડીને કહ્યું,"દીકરા, કલરવાળાને બે દિવસ પછી બોલાવજે. ઘરમાં અત્યારે રૂ ના ઢગલા છે. પાગરણનું કામ પતી જવા દે." રાજેશ બીજા કામે નીકળી ગયો. મોટા દીકરા મહેશની બેબીની ફરિયાદ હતી કે "મારી પરીક્ષા આવી છે ને મારાથી વંચાતું નથી, મિસ્ત્રી આખો દિવસ ઠક-ઠક કરે છે, આખા બંગલામાં ક્યાંય શાંતિથી બેસાય એવી જગ્યા નથી." નાનો ટીનું હાથ લઈને બેઠો હતો કે,"મારી સાથે કોઈ આજે ને આજે આવો ને મને નવાં કપડાં લઈ આપો." અધૂરામાં પૂરું એક કાર બગડી હતી. ગેસનો છેલ્લો બાટલો ખલાસ થવાની અણી પર હતો. ટ્રકવાળાઓની હડતાલના કારણે બાટલા મળતા નહોતા. કેબલફૉલ્ટના લીધે ફોન ત્રણ દિવસથી બંધ હતો. કામવાળી બહેન માંદી થઈ ગઈ હતી. કામ અટક્યાં હતાં એટલે બધાં રઘવાયાં-રઘવાયાં થઈ ગયાં હતાં, અને બધાનાં મગજ પર સખત દબાણ હતું. આ બધું ઓછું હોય એમ આવીને ઊભા રહ્યા મંગળપરી. મંગળપરીના અણધાર્યા આગમનથી શેઠાણીને આંચકો લાગી ગયો. એક તો શંકરના પૂંજારી એટલે વધારે કશું કહેવાય નહિ. બીજું, મંગળપરીના ધામા ત્રણથી ચાર દિવસના હોય અને લગ્નની તૈયારીના દિવસોમાં મંગળપરી સાથે વાત કરવાની પણ કોને નવરાશ હોય? તીજું, રાજેશનો મારફાડિયો સ્વભાવ.